જેમાં મિડ ડ્રાઇવ મોટર જોડવામાં આવી છે. આ બેટરી ચાર્જ કરવાને લઇને કંપનીનો દાવો છે કે નોર્મલ ચાર્જરથી આ બેટરી ત્રણ કલાકમાં શૂન્ય થી પંચોતેર ટકા અને ચાર પોઈંટ પાંચ કલાકમાં સો ટકા ચાર્જ થઇ શકે છે. રેન્જને લઇને રિવોલ્ટ મોટર્સનો દાવો છે કે, ઇલેકટ્રિક બાઇક ફૂલ ચાર્જ કરતાં એકસો પચાસ કિલોમીટર ચાલે છે. જેમાં પંચાસી કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સ્પીડથી બાઇક દોડાવી શકાય છે. ઇવી બાઇક રિવોલ્ટ આરવી ચારસો ફિચર્સની વાત કરીએ તો આ ઇ બાઇકમાં ફ્રંટ અને રિયર બંને વ્હિલમાં કંપનીએ બસો ચાલીસ એમએમ ડિસ્ક બ્રેક આપી છે. જેની સાથે કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ પણ જોડવામાં આવી છે. સસ્પેન્શન સિસ્ટમમાં આ ઇ બાઇકમાં ફ્રંટમાં અપસાઇટ ડાઉન ફોર્ક સસ્પેન્શન અને રિયરમાં મોનોશોક વિથ પ્રીલોડ એડજસ્ટેબલ શોક એબ્ઝોર્બર સસ્પેન્શન આપ્યા છે. રિવોલ્ટ આરવી ચારસો ઇલેક્ટ્રિક બાઇકમાં ફાસ્ટ ચાર્જિંગ, બ્લૂટૂથ, વાઇફાઇ, ત્રણ રાઇડિંગ મોડ, નેવિગેશન, એલઇડી હેડ લાઇટ, એલઈડી ટેલ લાઇટ, એલઈડી ટર્ન સિગ્નલ લેમ્પ, ડિજિટલ સ્પિડોમીટર, ડિજિટલ ઓડોમીટર, રિમોટ, પુશ બટન સ્ટાર્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, જિયો ફેંસિંગ, એક્સટર્નલ સ્પિકર જેવા ફિચર્સ છે. રાજીવ જૈનનો દાવો- 'મોદી સરકાર રહે કે ન રહે, અદાણી ગ્રૂપની કંપનીઓને કોઇ આંચ નહીં આવે'. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ રોકાણકારોનો અદાણી ગ્રૂપ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો તેવા કટોકટીના સમયે જ રાજીવ જૈને ગૌતમ અદાણીની કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. આ વખતે જૈન સીધા જ મોદી સરકાર લાવ્યા અને અદાણીને ટેકો આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે, મોદી સરકાર સત્તામાં રહે કે ન રહે, અદાણી જૂથની કંપનીઓ હંમેશા મજબૂત રહેશે. વાસ્તવમાં રાજીવ જૈનના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂર છે. ત્યારથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં સુધારો થવા લાગ્યો છે. રોકાણકારો પાસે જૂથમાં વિશ્વાસ રાખવાનું સારું કારણ હતું. તેમણે જે કંપનીઓમાં રોકાણ કર્યું છે તેની વાત કરીએ તો આઈટીસી, સન ફાર્મા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં પણ મોટું રોકાણ કર્યું છે.